કાઠમંડુમાં ચીની દૂતાવાસની બહાર યુવાનોએ વિરોધ નોંધાવ્યો અને ચીન સામે સૂત્રોચ્ચાર કર્યા. ચીનના સૈનિકોએ નેપાળના હુમલા જિલ્લામાં સરહદ સ્તંભની બે કિ. મી. માં નેપાળી જમીન પર કબજો કરીને ઇમારત બનાવી છે. એટલું જ નહીં, ત્યાં નેપાળી નાગરિકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ છે. આ સમાચાર બહાર આવતાની સાથે જ નેપાળ સરકારે તમામ સુરક્ષા સંસ્થાઓ અને વહીવટી અધિકારીઓને માહિતી માટે જમીન પર મોકલ્યા. હુલા જિલ્લાના મુખ્યાલયથી બે દિવસ દૂર આવેલા લપ્ચા વિસ્તારમાં, ચાઇનાથી અનધિકૃત રીતે ઇમારતો બનાવવામાં આવી છે. ચીન દાવો કરે છે કે, જ્યાં બનેલી ઇમારતો તે ચીનના પ્રદેશમાં આવે છે, જ્યારે નેપાળી પક્ષનો દાવો છે કે, નંબરની સરહદ સ્તંભ ગાયબ થઈ ગયો છે અને ચીને નેપાળની જમીનને અતિક્રમણ કરતી આ ઇમારતો બનાવી છે. જ્યારે નેપાળી અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે ચીને બિલ્ડિંગ સાઇટ પર વાત કરવાની પણ ના પાડી દીધી હતી. ચીનના સૈન્ય અધિકારીઓએ કહ્યું કે, કોઈપણ સરહદને લગતી બાબત ફક્ત સરહદ વિસ્તારમાં થશે. અહીં, ચીની દૂતાવાસે એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ચીને નેપાળની જમીનને ઘેરી લીધી છે અને તેને બનાવ્યો તેવા સમાચાર ખોટા છે. જો નેપાળ પાસે પુરાવા છે, તો ચીન વાટાઘાટો માટે તૈયાર છે. બે મહિના પહેલા, નેપાળના ગોરખા જિલ્લાના કપ્પા ગામમાં ચીન જોડાવાના સમાચાર મળ્યા હતા. આ પછી નેપાળમાં ભારે હંગામો થયો હતો. જૂનમાં, વિપક્ષની નેપાળી કોંગ્રેસે પણ નેપાળી સંસદના નીચલા ગૃહમાં એક ઠરાવ રજૂ કર્યો, જેમાં ઓલી સરકારને ચીનની જોડેલી જમીન પરત લેવાનું કહેવામાં આવ્યું હતું.